ઔદ્યોગિક જગ્યાઓ માટે વિવિધ વાસ્તુ ટિપ્સ છેજેનું યોગ્ય રીતે પાલન કરવાથી ઉત્પાદનમાં વધારો અને મહત્તમ ઉપયોગ કરવામાં મદદ મળે છે. સંસાધનો, અને વધુ સારા વેચાણ અને માલસામાનના સરળ માર્ગ તરફ પણ મદદ કરે છે. વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થશે, સાથે સાથે કામ કરતા લોકોમાં પણ સુમેળ રહેશે. ઔદ્યોગિક જગ્યા માટે વાસ્તુ ટિપ્સ નીચેના બ્લોગમાં, અમે તમારી સાથે ઔદ્યોગિક જગ્યાઓ માટે કેટલીક મહત્વપૂર્ણ વાસ્તુ ટીપ્સ શેર કરીએ છીએ. જ્યારે યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે ત્યારેતમને તમામ વાસ્તુ લાભો આપશે તેની ખાતરી છે. તો આગળ વાંચોદક્ષિણપશ્ચિમ ખૂણામાં સેપ્ટિક ટાંકી મૂકો કચરાના નિકાલ માટે વપરાતી કોઈપણ સેપ્ટિક ટાંકી ફેક્ટરીના પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ સ્થાને મૂકવી જોઈએ. તેશૌચાલય અને બાથરૂમ માટે જાય છે. ઓવરહેડ પાણીની ટાંકીઓ પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ પણ કરે છે, તેથી તમારે ખાતરી કરવી જોઈએ કે તે તમારી ઔદ્યોગિક જગ્યાની ઉત્તરપૂર્વ દિશામાં મૂકવામાં આવી નથી. ઉત્તર કે પૂર્વ દિશામાં ક્યારેય સેપ્ટિક ટાંકીલગાવો વાહનો માટે પાર્કિંગ વિસ્તારની પુનઃરચના કરો સૌથી સરળ ઔદ્યોગિક વાસ્તુ ટિપ્સમાંની એક છે તમારા ઉદ્યોગના પાર્કિંગની જગ્યાનું પુનર્ગઠન કરવું. શરૂઆત માટે, હળવા અને ભારે વાહનોને અલગ કરો અને તેમને જુદી જુદી દિશામાં પાર્ક કરો. તમારે વાહનોના પાર્કિંગ માટેનો વિસ્તાર દક્ષિણ દિશામાં હોવો જોઈએ, જ્યારે હળવા વાહનો પૂર્વ અને ઉત્તર દિશામાં પાર્ક કરી શકાય છે. સૌથી મહત્વની વાતછે કે તમારે ક્યારેય પણ ઈશાન દિશામાં વાહનો પાર્કકરવા જોઈએ. વાહનો યોગ્ય દિશામાં પાર્ક કરો સૂક્ષ્મ ટોન માં પેન્ટ્રી કરું જો તમારી પાસે તમારી ફેક્ટરીમાં મીની-કિચન અથવા પેન્ટ્રી છે, તો તમારે ખાતરી કરવી જોઈએ કે સાચી વાસ્તુ તકનીકોનું પાલન કરવામાં આવે છે. ખાતરી કરો કે દિવાલો પર ઉપયોગમાં લેવાતા રંગોરંગેલું ઊની કાપડ અથવા આકાશ વાદળી જેવા સૂક્ષ્મ છે. શ્યામ રંગો ક્યારેક નકારાત્મકતા દર્શાવી શકે છે, તેથી તેને ઔદ્યોગિક રસોડાના પેન્ટ્રીમાં ટાળવા જોઈએ. રસોડામાં ઘેરા રંગોનો ઉપયોગ કરવાનું ટાળો વાસ્તુ મુજબ ઘરે સ્ટડી ટેબલ માટે શ્રેષ્ઠ દિશા, વાસ્તુ મુજબ બેડરૂમ ફર્નિચર પ્લેસમેન્ટ ટિપ્સબેડરૂમ વાસ્તુ ટિપ્સને અનુસરવા માટે સરળ, લગ્ન અને સારા સંબંધો માટે વાસ્તુ ટિપ્સ, ઘર માટે વાસ્તુ દિશાઓઘર માટેવાસ્તુ ટિપ્સ અજમાવો!,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 વાસ્તુશાસ્ત્ર મુજબ કારખાનાનું પ્રવેશદ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. તદુપરાંત, ઔદ્યોગિક